જે ઉમેદવાર જરૂરી લાયકાતનું સેમેસ્ટર અથવા વર્ષ પૂર્ણ કરી ચૂક્યો હોય, પૂર્ણ કરવાનો હોય અથવા અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યો હોય તે અરજી કરી શકે છે. જોકે, ઉમેદવારે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ પહેલાં જાહેરાતમાં જણાવેલી જરૂરી લાયકાત મેળવીને તેનું પ્રમાણપત્ર અથવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે. વયમર્યાદા, નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે ઉમેદવારે અરજી કરવાની છેલ્લી તારીખ, એટલે કે એકત્રીસ જુલાઈ બેહજાર ત્રેવીસના રોજ વીસ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઈએ. સામાન્ય વહીવટ વિભાગના ઓગણત્રીસ સપ્ટેમ્બર બેહજાર બાવીસના જાહેરનામા તથા આયોગના હુકમ મુજબ, મહત્તમ વયમર્યાદા છત્રીસવર્ષ સુધીની હોઈ શકે છે. ઉંમરની ગણતરી અરજી કરવાની છેલ્લી તારીખના આધારે કરવામાં આવશે. જરૂરી લાયકાત અંગે, જે ઉમેદવાર જરૂરી લાયકાતનું સેમેસ્ટર અથવા વર્ષ પૂર્ણ કરી ચૂક્યો હોય, પૂર્ણ કરવાનો હોય અથવા અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યો હોય તે અરજી કરી શકે છે. જોકે, ઉમેદવારે અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ પહેલાં જાહેરાતમાં જણાવેલી જરૂરી લાયકાત મેળવીને તેનું પ્રમાણપત્ર અથવા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડશે. વયમર્યાદા, નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની ભરતી માટે ઉમેદવારે અરજી કરવાની છેલ્લી તારીખ, એટલે કે એકત્રીસ જુલાઈ બે હજાર ત્રેવીસના રોજ વીસ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ઉંમરના ન હોવા જોઈએ. સામાન્ય વહીવટ વિભાગના ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસના જાહેરનામા તથા આયોગના હુકમ મુજબ, મહત્તમ વયમર્યાદા છત્રીસ વર્ષ સુધીની હોઈ શકે છે. ઉંમરની ગણતરી અરજી કરવાની છેલ્લી તારીખના આધારે કરવામાં આવશે. કોણ અરજી કરી શકે?આ ભરતી માટે નીચેના ઉમેદવારો અરજી કરી શકે છે: ભારતનો નાગરિક, નેપાળનો પ્રજાજન, ભૂતાનનો પ્રજાજન, તિબેટનો એવો નિર્વાસિત, જે ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી નિર્ધારિત તારીખ પહેલાં ભારતમાં આવ્યો હોય. મૂળ ભારતીય વ્યક્તિ, જે ભારતમાં કાયમી વસવાટ કરવાના ઇરાદાથી પાકિસ્તાન, બાંગ્લાદેશ, બર્મા, શ્રીલંકા, કેન્યા, યુગાન્ડા, તાંઝાનિયા, ઝાંબિયા, મલાવી, ઝૈર, ઇથોપિયા અથવા વિયેતનામ જેવા દેશોમાંથી સ્થળાંતર કરીને ભારતમાં આવી હોય. ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? આ ભરતી માટે આયોગ દ્વારા માત્ર ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. ઉમેદવારો પંદર જુલાઈના બપોરે એક વાગ્યાથી એકત્રીસ જુલાઈની રાત્રે અગિયાર વાગીને ઓગણસાઠ મિનિટ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. અરજી કરવા માટે ઉમેદવારે આયોગની વેબસાઈટ પર દર્શાવવામાં આવેલા પગલાં અનુસાર એક પછી એક પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અરજી ફી, રસ ધરાવતા ઉમેદવારોએ રૂ. એકસોની અરજી ફી ભરવાની રહેશે, અરજી ફી ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ મારફતે ભરી શકાય છે. સાપ્તાહિક રાશિફળ, તમામ રાશિના જાતકો માટે આ સપ્તાહ કેવું રહેશે? વેપાર-ધંધામાં બરકત રહેશે કે નુકસાન થશે? અભ્યાસ અને કરિયર માટે સપ્તાહ કેવું રહેશે? અહીં તમામ રાશિના જાતકોનું સાપ્તાહિક રાશિફળ વાંચો. મેષ સાપ્તાહિક રાશિફળ, ગણેશજી કહે છે કે તમારા પરિવારમાં સારી વ્યવસ્થા જાળવવા માટે બનાવવામાં આવેલા નિયમોને કારણે ઘરમાં શિસ્તબદ્ધ અને આનંદદાયક વાતાવરણ રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી ઘરેલું સમસ્યાનો ઉકેલ પણ મળી શકે છે. ઘરના વડીલ સભ્યોની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે તમારી દિનચર્યા થોડી વ્યસ્ત રહી શકે છે. આ સમયે બાળકોની સમસ્યાઓ પર પણ ધ્યાન આપીને તેનું નિરાકરણ લાવવું જરૂરી છે.